રોહિત ઘરે પાછો ફર્યો અને રોજ શાળાએ જતો રહ્યો. તે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનું શરૂ કરે છે અને તેનું ઘરકામ પણ પૂર્ણ કરે છે. તે નિયમિત રીતે તેના પાઠ શીખે છે. સાંજે, તે રમતના મેદાનમાં જાય છે અને ત્યાં તેના મિત્રોને શોધે છે. તે લગભગ એક કલાક તેમની સાથે રમે છે. ઘરે પાછા ફર્યા પછી, તે તેમનું ડિનર લે છે અને પછી તેણે સ્કૂલમાં જે અભ્યાસ કર્યો છે તેને સુધારે છે. તેની વર્તણૂકમાં આ પરિવર્તનની સાથે, હવે તે બધાને પસંદ આવે છે. તેના શિક્ષકોએ તેની સમયની નિષ્ઠા માટે પ્રશંસા કરી છે અને તેના માતાપિતા તેના માટે ગર્વ અનુભવે છે. તો હવે, તે એક સાયકલની ઝડપે દેશની સૌથી ઝડપી કાર ચલાવતો, રસ્તા પર હતો! કોઈ આશ્ચર્ય નથી કે લોકોને તે રમુજી લાગ્યું. દુનિયાના ઘણા લોકો શ્રી રોશનલાલ જેવા છે. તેમની પાસે અદ્ભુત શરીર અને દિમાગ છે પરંતુ તેઓ આધ્યાત્મિક માસ્ટર્સને સાંભળવા માંગતા નથી જે કાર કંપનીમાં માર્ગદર્શિકા જેવા છે. ન તો તેઓ ધર્મ અને સંસ્કૃતિ પરના કોઈપણ પુસ્તકોનું પાલન કરવાનું ઇચ્છતા નથી જે સૂચના પુસ્તિકાઓ જેવા છે. તેથી તેઓ તેમના ભગવાન દ્વારા આપવામાં આવેલા સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી. અમે ઘરે જાતે કામ કરીએ છીએ અને પરિવારના સભ્યોને મદદ કરીએ છીએ. ત્યાં આપણે વિચારતા નથી કે આપણી ઘરની પ્રવૃત્તિઓ આપણી નોકરી છે કે નહીં. તે જ રીતે, આપણી શાળા પણ આપણા ઘર જેવી છે. અમે અહીં એક સાથે લાઇન કરીએ છીએ અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ કરીએ છીએ. શું આપણે તેની સ્વચ્છતા વિશે પણ વિચારવું ન જોઈએ? જો આપણે તેને ગંદા કરીશું, તો કોણ સાફ કરશે? મને લાગે છે કે આપણે તે જાતે કરવું જોઈએ. પોંગલ તમિલનાડુમાં મકરસંક્રાતિને પોંગલના રૂપમાં ઉજવે છે. સૌર પંચાગ અનુસાર આ તહેવાર પહેલી તારીખે આવે છે. તમિલનાડુની અંદર પોંગલ ખાસ કરીને ખેડુતો માટેનો તહેવાર છે. પોંગલ સામાન્ય રીતે ત્રણ દિવસ સુધી ઉજવાય છે. પહેલા દિવસે કચરાને એકત્રિત કરીને સળગાવવામાં આવે છે બીજા દિવસે લક્ષ્મીની પૂજા થાય છે અને ત્રીજા દિવસે પશુ ધનની પૂજા કરવામાં આવે છે. પોંગલના દિવસે સ્નાન કર્યા બાદ ખુલ્લા આંગણમાં માટીના નવા વાસણની અંદર ખીર બનાવવામાં આવે છે. જેને પોંગલ કહેવાય છે. ત્યાર બાદ સૂર્ય ભગવાનને નૈવેધ ચડાવ્યા બાદ ખીરને બધા પ્રસાદનાં રૂપમાં ગ્રહણ કરે છે. આ દિવસે પુત્રીનું અને જમાઈનું ઘરે સ્વાગત કરવામાં આવે છે. ત્રીજા દિવસે ખેડુતો પોતાના પશુઓને ખુબ જ સુંદર રીતે શણગારીને તેમનું સરઘસ કાઢે છે.